જો તમે શેડ સાથે બોલ્ડ થવા માંગતા હોવ તો એક્વા કલર કુશન કવર, વાઝ અથવા તો ફોટો ફ્રેમના રૂપમાં તમારા ઘરનો એક ભાગ બની શકે છે. એક્વા કલરનો સારાંશ શાંતિ, ઉર્જા અને વૃદ્ધિસૌથી અગ્રણી વસ્તુઓ છે જે એક્વા કલર રજૂ કરે છે. જ્યારે સફેદ સાથે જોડી બનાવવામાં આવે ત્યારે ઠંડક અને અદ્ભુત શાંતિ લાગે છે, પરંતુ કેટલાક અન્ય એક્વા કલર કોમ્બિનેશન છે જે ઘરની ડિઝાઇન અને આંતરિક વસ્તુઓની વાત આવે ત્યારે પણ સારી રીતે કામ કરે છે. શું તમે એક્વા કલરના ચાહક છો અને શું તમે તેને તમારા ઘરનો એક ભાગ બનાવવા માંગો છો? તો અમને જણાવો. અન્ય કોઈપણ વિચારો તમને પ્રેરિત કરે છે? અમને જણાવો કે તમે નીચેની ટિપ્પણીઓમાં તમારા ઘરમાં એક્વાનો ઉપયોગ કેવી રીતે કરવા માંગો છો. ઘર માટે વધુ રંગ સંયોજનો બેડરૂમ માટે જાંબલી બે રંગ સંયોજનો બેડરૂમ માટે વાદળી બે રંગ સંયોજનો તમારા રૂમ માટે મિન્ટ ગ્રીન કોમ્બિનેશન તમારા રૂમ માટે ઓરેન્જ બે કલર કોમ્બિનેશન તમારા ઘર માટે ટોચના પીળા રંગના વિચારો બેડરૂમ માટે ગુલાબી બે રંગ સંયોજનો વાસ્તુ મુજબ રસોડા માટે શ્રેષ્ઠ રંગ સંયોજન બેડરૂમની દિવાલો માટે બે રંગ સંયોજનો તમારા ઘર માટે લાલ રંગના સંયોજનો તમારા ઘરના પ્રવેશ માટે વાસ્તુ નેમ પ્લેટ ડિઝાઇનછબીઓ સાથે તમારા ઘર માટે વાસ્તુ મુજબ નેમ પ્લેટ રાખવીએક સારો વિચાર છે કારણ કે તે તમારા ઘરમાં નસીબ અને સમૃદ્ધિ લાવશે. તમારા ઘર માટે નેમ પ્લેટ હોવી જરૂરી છે કારણ કે તે તમારા ઘરની ઓળખ છે. પરંતુ તે વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ કેમ હોવું જોઈએ? ઠીક છે, એવા ઘણા લોકો છે જેઓ જ્યારે નેમ પ્લેટ પસંદ કરવાની વાત આવે છે ત્યારે વાસ્તુને કોઈ મહત્વ આપતા નથી અને તેઓને ગમતી વસ્તુ પસંદ કરે છે. જો કે, વાસ્તુ મુજબ નેમ પ્લેટ તમારા ઘરમાં સારા નસીબ અને નસીબને આવકારવાની ચાવી છે. તમારી આસપાસના વાતાવરણ સાથે સંરેખિત યોગ્ય સામગ્રી પસંદ કરવી અને પછી તેને યોગ્ય દિશામાં મૂકવી વાસ્તુના તમામ મહત્વપૂર્ણ પાસાઓ છે. નીચેના બ્લોગમાં, અમે નેમ પ્લેટ્સનું શું મહત્વ છે તેની ચર્ચા કરીએ છીએ, અને તમને વાસ્તુ મુજબ નેમ પ્લેટ માટે ડિઝાઇન આપીએ છીએ, અને તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારને કેવી રીતે સજાવટ કરી શકો છો તેની પણ ચર્ચા કરીએ છીએ. આગળ વાંચો વાસ્તુ મુજબ નેમ પ્લેટનું મહત્વ નેમપ્લેટ વ્યક્તિને તમારું ઘર શોધવામાં મદદ કરે છે અને સકારાત્મક ઊર્જા આકર્ષિત કરે છે. જો તમે તેને મહત્તમ લાભ મેળવવા માટે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર મુકશો તો તે મદદ કરશે.